સતીશ કૌશિકનો રોલ ભલે મોટો હોય કે નાનો, તે જ્યાં સુધી પડદા પર હતો ત્યાં સુધી તે લોકોને હસાવશે. 'પૉપ કૌન'ના ટ્રેલરમાં પણ આવું જ જોવા મળ્યું હતું. મલ્ટી-સ્ટારર શ્રેણી 'પોપ કૌન' માર્ચથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. પણ અફસોસ, હવે માત્ર તેના શબ્દો જ રહી ગયા છે. સતીશ કૌશિકના નિધન બાદ તેમના શો 'પૉપ કૌન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. સતીશ કૌશિક એવા સ્ટાર્સમાંના એક હતા જેઓ તેમના ચોક્કસ કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. સતીશ કૌશિકનો રોલ ભલે મોટો હોય કે નાનો, તે જ્યાં સુધી પડદા પર હતો ત્યાં સુધી તે લોકોને હસાવશે. 'પૉપ કૌન'ના ટ્રેલરમાં પણ આવું જ જોવા મળ્યું હતું. ડિઝની પ્લસ હોટસ્ટારના નવા શો 'પૉપ કૌન'નું ટ્રેલર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. 'પોપ કૌન' એક કોમેડી સિરીઝ છે. કુણાલ ખેમુ, જેમી લીવર, રાજપાલ યાદવ, સૌરભ શુક્લા, નુપુર સેનન, જોની લીવર, ચંકી પાંડે અને સતીશ કૌશિક આ શોના મુખ્ય કલાકારો છે. 'પૉપ કૌન'નું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. લાંબા સમય બાદ કોમેડી સિરીઝના ટ્રેલરે લોકોને હસાવતા અને હસાવ્યા. શોની કહાની કુણાલ ખેમુની આસપાસ ફરે છે, જે તેના અસલી પિતા કોણ છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સિરીઝનું ટ્રેલર રિલીઝ કરતાં કુણાલ ખેમુએ લખ્યું, કોમેડી પીઢ કલાકાર સતીશ કૌશિકજીને સલામ, જેમના કામથી વર્ષો સુધી અમને હસાવ્યું ટ્રેલરમાં, સતીશ કૌશિક તેની ટૂંકી ભૂમિકામાં પણ લોકોના ચહેરા પર સ્મિત લાવતા જોવા મળ્યા હતા. નુપુર સેનન કરશે ડેબ્યૂ કૃતિ સેનનની બહેન નુપુર સેનન મલ્ટી સ્ટારર સીરિઝ 'પોપ કૌન'થી અભિનયની શરૂઆત કરવા જઈ રહી છે. સીરિઝમાં તે કુણાલ ખેમુની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવતી જોવા મળશે. ટ્રેલરમાં તેનો રોલ પ્રભાવશાળી હતો.